દેશના ભવિષ્ય માટે તેમના સપનાની જોડણી કરે છે. આઠ મી માર્ચ એ ભારતના નિર્માણમાં તેમની દ્રષ્ટિ અને યોગદાનને માન્યતા આપવા માટે પ્રતીકાત્મક દિવસ બની જાય છે। છેલ્લા કેટલાક વર્ષોમાં, મહિલા દિનની ઉજવણીએ તેમને અસંખ્ય સેમિનાર નેટવર્કિંગ મેળાવડા અને પ્રાયોજિત પાર્ટીઓમાં પણ એક સાથે આવવાનું પ્રોત્સાહન આપ્યું છે. તે સમય છે જ્યારે દરેક ક્ષેત્રના શક્તિશાળી પુરુષો ભારતીય મહિલાઓને પુષ્કળ શ્રદ્ધાંજલિ આપે છે. અમિતાભ બચ્ચને કરેલી અમૂલ્ય ટિપ્પણીનું ઉદાહરણ છે! તેમણે કહ્યું, તે સ્પષ્ટ છે કે એકવીસ મી સદી મહિલાઓની છે તેઓ જે શક્તિ અને મહિમા માણી રહ્યાં છે તે દરેક કમાવ્યું છે અને પુરુષોએ તેમની સિદ્ધિઓને દિલથી વખાણવા જોઈએ. ' આ ત્રણ શોધના આધારે, મહિલાઓએ તેમના લક્ષ્યોને શાબ્દિક રીતે ગૌરવ અને ગૌરવ સાથે આવરી લેવામાં આવ્યાં છે. તેઓએ શંકાઓથી આગળ દર્શાવ્યું છે કે, જેમ કે વિશ્વ પ્રકાશની ગતિએ વિકલ્પો અને તકોની નવી વિંડોઝ ખોલે છે, તેઓ પ્રસંગમાં આગળ વધવા અને નસીબની ભરતીને તેમની તરફેણમાં લાવવા માટે પૂરતી સ્માર્ટ, સુંદર અને સમજશકિત છે. ભારતની સુંદર મહિલાઓની સફળતાએ ફેશન, માવજત અને સુંદરતા ઉદ્યોગોમાં પણ એક વિશાળ ક્રાંતિ સર્જી છે. એંસીના ફેશન ડિઝાઇનરો, જેમણે મૂળ રચનાઓ સલવાર કમીઝમાં વિવિધ દેખાવ સુધી મર્યાદિત કરી હતી, તેમણે છેલ્લા દસ વર્ષમાં નવીનતા અને એક્ઝોટિકાના ભવ્ય પ્લમેજ મળ્યા મેળવ્યાં છે. તુ કુમાર, રીતુ બેરી, મોનિષા જયસિંગ, અન્ના સિંઘ, નીતા લુલ્લા અને અન્ય ઘણા મહિલા ડિઝાઇનરોએ ભારતીય ફેશન- વસ્ત્રોને એક નવી વ્યાખ્યા આપી હતી. આજે, ભારતીય ડિઝાઇનરો ભારતમાં દરેક સીઝનમાં માત્ર તેમના સંગ્રહને વેચે છે, પરંતુ તેઓ યુકે, યુ. એસ., યુરોપ અને સ્ટ્રેલિયાના હાઇ-એન્ડ સ્ટોર્સમાં ઘણા દેશોમાં તેમની શૈલીઓ નિકાસ કરે છે અને વિશ્વના ઘણા ભાગોમાં યોજાયેલા ફેશન સપ્તાહમાં શો યોજશે. મિલાન અને પેરિસ જેવા ફેશન રાજધાની. રમઝાન માત્ર રોજા રાખવાનો નહીં, પરંતુ સ્વશુદ્ધિ કરવાનો મહિનો પણ છે. રમઝાન કે રમજાન ઈસ્લામી હિજરી સનનો નવમો મહિનો છે. ઈસ્લામના બધા મહિનાઓમાં રમજાનને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ મહિનામાં કુરાન નાઝિલનો જન્મ થયો હતો. પૈગંબર હજરત મોહમ્મદ પર આકાશવાણી થઈ હતી અને તેમણે અલ્લાહનો પૈગામ તેમના બંદાઓને જણાવ્યો. આ જ કુરાન છે. રમઝાનની સત્તાવીસ મી તારીખે કુરાન મુકમ્મિલ થઈ હતી। કુરાનમાં જ રમઝાન-રોઝાનો ઉલ્લેખ છે. રોઝા ફક્ત ભુખ-તરસની પરિક્ષા નથી પણ અલ્લાહની ઈબાદત પણ છે. જ્યારે કોઈ રોઝા કરે છે તો તે સમજે છે કે તે અલ્લાહના આદેશોનું પાલન કરે છે. રોજાના વિશે પૈગમ્બર સાહેબનું ફરમાન છે કે ' સર્વ આધા ઈમાન હૈ ઔર રોજા આધા સબ્ર હૈ '. જો કે રોઝા ઈબાદતનો દરવાજો છે. હજરત આઈશા સિદ્દીકાથી રવાયત છે કે ' સ્વર્ગનો દરવાજો ખખડાવ્યા કરો '. લોકોએ પુછ્યું કઈ વસ્તુથી, ફરમાવ્યું ભુખ રોજાથી. રોઝાની અંદર રોઝાદાર સવારે ભોરથી સાંજે સુધી કઈ પણ ખાધા-પીધા વિના ભુખ્યો રહે છે. રોજાની અંદર તે વાતનું ધ્યાન રાખવું પડે છે કે તમે કોઈને દગો તો નથી કરી રહ્યાં ને! જુઠ્ઠુ તો નથી બોલી રહ્યાં ને અને કોઈનું નુકશાન તો નથી કરી રહ્યાં ને! જો તમે કોઈની નિંદા।